સોફ્ટવેરને કમ્પ્યુટર અને મોબાઇલમાં ડાઉનલોડ, ઇન્સ્ટોલ કરવાની રીત કમ્પ્યુટરમાં ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવાની રીત કમ્પ્યુટરમાં કોઈ પણ બ્રાઉઝર ખોલો અને તેના એડ્રેસ બારમાં. લખીને વેબસાઇટ ખોલો. હવે. વેબસાઇટ પર નીચે સ્ક્રોલ કરીને જાવો અને વનમાં તમને ડાઉનલોડ લિન્ક મળી જશે તો તમે કોઈ પણ દ્વારા ડાઉનલોડ કરી લો. ઇન્સ્ટોલ કરવાની રીત આ ફાઇલ પર ડબલ ક્લિક કરો અને તમારી પરમિશન લેવા માટે કે બટન આવશે તો તેમાં દબાવવું. હવે ભાષા રહેવા દેવાની છે અને દબાવીને આગળ વધવાનું છે. હવે બટન દબાવવાનું છે. હવે એક એગ્રીમેંટ આવશે તો તેને તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો અથવા તમે દબાવો. હવે તમારે આ સોફ્ટવેર કયા ફોલ્ડર કે ડ્રાઇવમાં ઇન્સ્ટોલ કરવું છે તે પસંદ કરીને દબાવો અથવા તમે ડાઇરેક્ટ પણ દબાવી શકો છો. હવે થોડા સમયમાં તમારું આ સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ જશે. હવે ડાઇરેક્ટ પર ક્લિક કરશો તો તમારું સોફ્ટવેર ખુલવા માંડશે. તમારી સામે ઉપર ફોટામાં બતાવ્યા પ્રમાણે ઓપ્શન આવે તો કરવું કારણ કે આના વગર જ તમારું કામ થઈ જશે. હવે તમારું સોફ્ટવેર ખૂલી જાય પછી તમારે મોબાઇલમાં આવી જવાનું છે મોબાઇલમાં ડાઉનલોડ, ઇન્સ્ટોલ કરવાની રીત તમે પર જાવો અને સર્ચ કરો અને હવે તમારે પ્રથમ એપ જે તમને ઉપર દેખાય છે એ ડાઉનલોડ કરી લેવાની છે. તમારા કમ્પ્યુટર સાથે કનેક્ટ કઈ રીતે થશે? તમે થ્રી મુખ્ય રીત દ્વારા મોબાઇલ અને કમ્પ્યુટરને દ્વારા કનેક્ટ કરી શકશો. પહેલી રીતમાં તમારે મોબાઇલમાં અને કમ્પ્યુટરમાં ચાલુ કરીને કનેક્ટ કરવાનું હોય છે અને મોબાઇલમાં ઇન્ટરનેટ ડેટા પણ ચાલુ હોવો જોઈએ. બીજી રીતમાં તમારે મોબાઇલ અને કમ્પ્યુટરને કેબલ દ્વારા જોડવાનું રહેશે અને મોબાઇલમાં સાથે ચાલુ કરવું પડશે અને સાથે ઇન્ટરનેટ ડેટા. ત્રીજી રીતમાં તમે બંને ડિવાઇસમાં બ્લુટૂથ ચાલુ કરીને કનેક્ટ કરી શકો છો. મોબાઇલને માઉસ બનાવીને કમ્પ્યુટરમાં વાપરવાની રીત હું તમને અહી પહેલી રીત બતાવું છુ જેનાથી તમે સરળતાથી મોબાઇલને માઉસ તરીકે કમ્પ્યુટરમાં ઉપયોગ કરી શકો છો. સૌપ્રથમ મોબાઇલમાં ચાલુ કરીને કમ્પ્યુટરમાં દ્વારા તેને કનેક્ટ કરો અને ઇન્ટરનેટ ડેટા મોબાઇલમાં ચાલુ રાખો. હવે મોબાઇલમાં એપ ચાલુ કરો અને નીચે પર ક્લિક કરો અને તેની સાથે કમ્પ્યુટરમાં પણ ચાલુ રાખજો. હવે ઓટોમેટિક સ્કેન કરીને તમને નીચે તમારા કમ્પ્યુટરનું નામ બતાવવામાં આવશે તો તેના પર ક્લિક કરવું અને તેની જાતે થોડા સેકન્ડમાં તમારું મોબાઇલ તમારા કમ્પ્યુટર સાથે માઉસ તરીકે થઈ જશે. હવે તમને મોબાઇલમાં જ માઉસ જેવો ઓપ્શન મળશે જેમાં તમને નીચે રાઇટ ક્લિક અને લેફ્ટ ક્લિક કરવાનું બટન પણ મળશે.